પરંતુ અનુલક્ષીને આ માન્યતા હકીકતમાં વ્યક્ત થાય છે કે મોટાભાગના લોકો કોક પીવાનું પસંદ કરશે. એ જ રીતે, અમે મૂલ્યની વાતચીત કરી રહ્યા છીએ જ્યારે આપણે મોટે ભાગે છોકરીઓની ખુશામત કરીએ છીએ તેમના સુંદર વાળ માટે અથવા તેમના સુંદર પોશાક પરંતુ છોકરાઓ તેમની બુદ્ધિ માટે. અથવા જ્યારે અમે કેન્ડી આપવાનું પસંદ કર્યું છે પોષક ખોરાકની વિરુદ્ધ સારી વર્તણૂક માટેના પુરસ્કાર તરીકે. પુખ્ત વયના અને બાળકો ઉત્સાહી અસરકારક છે મૂલ્યો ઉપાડતી વખતે આ સૂક્ષ્મ વર્તણૂકોથી. અને બદલામાં, આ સમાપ્ત થાય છે તેમના પોતાના વર્તન આકાર. મેં આજે જે સંશોધન તમારી સાથે શેર કર્યું છે તે સૂચવે છે કે આ ક્ષમતા વિકાસની શરૂઆતમાં ઉભરી આવે છે. અમે પણ બોલી શકીએ તે પહેલાં એક સંપૂર્ણ વાક્ય અથવા પોટી-પ્રશિક્ષિત પણ છે અને તે એક અભિન્ન ભાગ બની જાય છે આપણે કોણ મોટા થઈએ છીએ. તેથી હું જતા પહેલાં તમને આમંત્રણ આપવા માંગુ છું મૂલ્યો પર ચિંતન કરવું કે અમે પ્રસારણ કર્યું દૈનિક ક્રિયાપ્રતિક્રિયામાં અને કેવી રીતે આ મૂલ્યો આકાર આપી શકે છે તમારી આસપાસના લોકોનું વર્તન. ઉદાહરણ તરીકે, શું તમે મૂલ્ય પ્રસારણ કરવામાં આવી રહ્યું છે જ્યારે આપણે વધારે સમય પસાર કરીએ છીએ આપણા પર હસતાં અન્ય લોકો સાથે હસવા કરતાં? તેવી જ રીતે, તમારે પોતાની વર્તણકને ધ્યાનમાં લો તમારી આજુબાજુના લોકો દ્વારા આકાર આપવામાં આવ્યો છે, તમે કદાચ નથી પહેલાં વિચાર્યું છે. અમારા સરળ ઉદાહરણ પર પાછા જવા માટે શું તમે ખરેખર પેપ્સી કરતા કોકને પસંદ કરો છો? અથવા આ પસંદગી ફક્ત ચલાવવામાં આવી હતી તમારી આસપાસના અન્ય લોકોનું શું મૂલ્ય છે? માતાપિતા અને શિક્ષકો ચોક્કસપણે વિશેષાધિકાર છે બાળકોની વર્તણૂકને આકાર આપવા. પરંતુ તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આપણે જે મૂલ્યો આપીએ છીએ દૈનિક સરળ ક્રિયાપ્રતિક્રિયામાં, આપણે બધામાં આકાર આપવાની શક્તિ છે આપણી આસપાસના લોકોનું વર્તન. એક અમેરિકાની સુપર માર્કેટની ટીમ હતી જેમને નક્કી કર્યું કે તેમનો વ્યવસાય વધુ કાર્યક્ષમ કરવાની જરૂર છે. તેથી તેઓએ તેમના ડિજિટલ પરિવર્તનને ઉત્સાહ સાથે સ્વીકાર્યું. ટીમો માંસ, શાકાહારી, બેકરીનું નિરીક્ષણ કરવા ગઈ અને એક અલ્ગોરિધમિક કાર્ય ફાળવણીકાર આવ્યું. હવે, લોકો એક સાથે કામ કરવાને બદલે દરેક કર્મચારી ગયા, અંદર ગયા, કાર્ય સોંપ્યું, કર્યું, વધુ માટે પાછા આવ્યા. આ સ્ટેરોઇડ્સ પર વૈજ્ઞાનિક સંચાલન હતુ માનકકરણ અને ફાળવણી કાર્ય. તે ઉત્તમ કાર્યક્ષમ હતું.